અમેરિકાના ઈન્ડિયાનામાં એક મહિલાનું વધારે પાણી પીવાથી મોત થયું થોડા દિવસો પહેલા ઈન્ડિયાનાની એક મહિલાનું વધુ પડતું પાણી પીવાથી મોત થયાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એશ્લે સમર્સ નામની મહિલા તેના પતિ અને બે બાળકો સાથે બે દિવસની વીકએન્ડ ટ્રીપ પર નીકળી હતી. અહીં તેણે પહેલા દિવસે ખૂબ જ એન્જોય કર્યું હતું, જોકે બીજા દિવસે અચાનક તેની તબિયત બગડવા લાગી હતી. શરૂઆતમાં, મહિલાને ડિહાઇડ્રેશનની સમસ્યા થવા લાગી. જેના કારણે તેને હળવો માથાનો દુખાવો અને ઉલ્ટીનો અનુભવ થતો હતો. તો, આ સમસ્યાને જોતા એશ્લેએ થોડી જ વારમાં લગભગ બે લિટર પાણી પી લીધું. મહિલાએ કહ્યું કે, આ રીતે ડિહાઈડ્રેશનની સમસ્યાને તરત જ દૂર કરી શકાય છે. આ એપિસોડમાં તેણે લગભગ વીસ મિનિટમાં ચાર બોટલ પાણી પી લીધું. અલબત્ત, આટલું પાણી પીવા માટે કેટલીક વ્યક્તિને સામાન્ય રીતે આખો દિવસ લાગે છે. અહીં એશ્લેને પાણી પીતી વખતે પણ કંઈક અજુગતું અનુભવાઈ રહ્યું હતું, તેમ છતાં તેણે આમ કરવાનું ચાલુ રાખ્યું. પછી શું થયું, પાણીની ચોથી બોટલ પૂરી કર્યા પછી એશ્લે અચાનક જમીન પર જ પડી ગઈ, જેના પછી તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ જવામાં આવી. તેની બગડતી હાલત જોઈને ડોક્ટરોએ પણ એશ્લેને માં દાખલ કરી, પરંતુ તેને બચાવી શક્યા નહીં. પાંત્રીસ વર્ષની ઉંમરે એશ્લેએ પાણીની ટોક્સીસિટીની અસરને કારણે દુનિયાને અલવિદા કહી દીધું. એટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસોમાં વધુ પાણી પીવાના કારણે અન્ય ઘણા લોકો બીમાર પડવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ખરેખર, શરીરમાં પાણીની વધુ માત્રાને કારણે, કિડની પર દબાણ આવે છે. આવી સ્થિતિમાં, કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, જેના કારણે આ પાણી બહાર આવવાને બદલે શરીરમાં જમા થવા લાગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને વારંવાર ઉલ્ટી થવાનું, હંમેશા થાકેલા અને નબળા રહેવાનું અથવા તો ઝાડા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વારંવાર પેશાબ સ્વાસ્થ્ય નિષ્ણાતો દિવસમાં છ થી આઠ વખત બાથરૂમ જવાને સામાન્ય માને છે. જો તમે ખૂબ કેફીન અથવા આલ્કોહોલ પીતા હો, તો લગભગ દસ વખત પેશાબ કરવો સામાન્ય છે. જો આના કરતાં વધુ વાર બાથરૂમ જવાની જરૂર થાય તો સમજી લેવું કે વધુ પાણી પીવાથી આવું થઈ શકે છે. દરેક સમયે માથાનો દુખાવો શરીરમાં વધુ પડતું પાણી સોડિયમની ઉણપ અથવા હાઈપો નેટ્રેમિયા તરફ દોરી શકે છે. તો, સોડિયમની ઉણપને કારણે, મગજ પર દબાણ વધવા લાગે છે, જેના કારણે માથાના દુખાવાની સમસ્યા ઊભી થાય છે. આ પ્રકારની સ્થિતિમાં મગજની માંસપેશીઓ પર સોજો પણ વધી જાય છે, તેની સાથે પીડિતને શ્વાસ લેવામાં તકલીફ થવી, કંઈપણ સમજવામાં વધુ સમય લાગવો, આંખોમાં સહેજ સોજો આવવો, વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.